અમે જ્યારે સ્પોર્ટ લોકેશન પર ગયા અને અમે ત્યારે ટ્રાયલ લીધો છે. અઢીસો કિલોમીટર સમથીંગનો અત્યાર સુધી ટ્રાયલ લીધો છે. ગાડી સાત હજાર કિલોમીટર ફરી છે. એટલા ટાઈમ સુધીમાં ના રનીંગમાં પ્રોબ્લેમ થાય છે કે ના અમે પહોંચે છે ત્યારે કોઈ ડાયગ્નોસની અંદર કે, કોઈ ડ્રાઈવ કરવામાં, કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે. તેમ છતાં એમાં જેટલો ટ્રાય લીધેલો છે અને ઇન્સ્યોરન્સ આપ્યું છે કે કંઈ પણ પ્રોબ્લેમ લાગે કંઈ પણ થાય તો તમે કલાક અમને ફોન કરી શકો છો. અમારો ટોલ ફ્રી નંબર છે, ઉપરાંત મારો નંબર આપેલો છે, સેલ પર્સનથી લઈને બીજા સર્વિસ સ્ટેશનમાં બધાનો નંબર આપેલો છે. તમે કોઈને પણ કોલ કરી શકો છો. અમે તરત તમારી પાસે આવી જઈશું અને જે પણ ગાડીમાં કન્શન હશે એને સંપૂર્ણપણે સોલ્વ કરવા માટે અમે કહ્યું છે. " એક તરફ ગ્રાહક એવું કહી રહ્યા છે કે કંપની તરફથી યોગ્ય સર્વિસ નથી મળી રહી જેને લઈને આટલી મોંઘીદાટ કાર શા માટે ખરીદવી? તો બીજી તરફ શોરૂમના સેલ્સ મેનેજર જણાવી રહ્યા છે કે કંપનીમાં અમે અઢીસો કિલોમીટર સુધીનો ટ્રાયલ લીધો છે. છતાં પણ કોઈતકલીફ નથી આવી રહી અને કોઈ તકલીફ થાય તો પણ અમે કસ્ટમરને એશ્યોરન્સ આપેલું છે કે અમે તુરંતકલાક સેવા માટે હાજર છીએ.